વાસ્તુ તમારા ઘરના દરેક ખૂણામાં હકારાત્મકતા અને ખુશીની ખાતરી કરવા માટે યોગ્ય રંગ, ફોર્મેટ, આકાર અને દિશાઓ સૂચવે છે. ઘર બનવા માટે તેમાં ચોક્કસ ઉર્જા હોવી જરૂરી છે અને વાસ્તુ જણાવે છે કે ઘરમાં રહેનાર વ્યક્તિ તે ઉર્જાનાં પ્રભાવ હેઠળ આવે છે. ઘરના સારા વાઇબ્સ અને વાસ્તુની કળા વચ્ચેના જોડાણને સમજવું મહત્વપૂર્ણ છે. નવા ઘર માટે વાસ્તુશાસ્ત્ર ટિપ્સ ઘર માટે વાસ્તુ ઘર માટેની વાસ્તુ આર્કિટેક્ચરલ અને ઈન્ટિરિયર સ્પેસમાં એક ચર્ચાનો વિષય બની રહી છે અને ટિપ્સને અનુસરીને, તમે ખાતરી કરી શકો છો કે તમારું ઘર શાંતિપૂર્ણ અને સુખી સ્થળ છે. વાસ્તુ સિદ્ધાંતો અનુસાર શાંતિપૂર્ણ રહેવાની જગ્યા ઘર માટે વાસ્તુના થોડા મૂળભૂત સિદ્ધાંતો રૂમનો આકાર નવા ઘર માટે વાસ્તુ ટિપ્સમાંથી એક છે રૂમનો આકાર તપાસવો. ઘર માટેની વાસ્તુ મુજબ ઘર ચોરસ અથવા લંબચોરસ આકારનું હોવું જોઈએ. રૂમ માટે મૂળભૂત વાસ્તુઃ ઘરના રૂમ સારી રીતે પ્રકાશિત, હવાદાર અને સ્વચ્છ હોવા જોઈએ. ફર્નિચર વિશે ઘર માટે વાસ્તુ મુજબ, તમારું ભારે ફર્નિચર જેમ કે પલંગ અને કબાટ દક્ષિણ-પશ્ચિમ દિશામાં રાખવું જોઈએ. નવા ઘર માટે એક ઝડપી વાસ્તુ ટીપ દક્ષિણ-પશ્ચિમ દિશામાં સીડી બાંધવી જોઈએ. વાસ્તુ પ્રમાણે પાણીઘર માટે એક મહત્વપૂર્ણ વાસ્તુ ટીપછે કે છોડ અને પાણીના માધ્યમો જેમ કે વોટર પેઈન્ટીંગ, ફુવારો, માછલીઘર વગેરે રાખવા. ડાઇનિંગ ટેબલ માટે વાસ્તુ ટીપતમારા ડાઇનિંગ સ્પેસ માટે ઘર માટે એક મહત્વપૂર્ણ વાસ્તુછે કે તે મુખ્ય દરવાજાની નજીક હોવી જોઈએ. નવા ઘર માટે વાસ્તુની મહત્વની ટિપ્સ. નવા ઘર માટે વાસ્તુ ટિપ્સ પ્રવેશ માટે વાસ્તુ દિશા નવા ઘર માટે વાસ્તુ ટિપ્સ મુજબ, ઘરનું મુજબ પ્રવેશદ્વાર માત્ર પરિવારનો પ્રવેશ બિંદુનથી, પરંતુ ઊર્જા અને વાઇબ્સ માટે પણ છે. તમારા ઘરના મુખ્ય પ્રવેશ બિંદુનું મુખ ઉત્તર, પૂર્વ અથવા ઉત્તર-પૂર્વ દિશા તરફ હોવું જોઈએ. તે બાંધવું આવશ્યક છે જેથી જ્યારે તમે બહાર નીકળો ત્યારે તમે ઉત્તર, પૂર્વ અથવા ઉત્તરપૂર્વ દિશા તરફ મુખ કરો. ઘર ખરીદતા અથવા બનાવતા પહેલા, ખાતરી કરો કે યોજનાચોક્કસ દિશાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ઘરનું પ્રવેશદ્વાર યોગ્ય દિશામાં હોવું જોઈએ ઘરના પ્રવેશદ્વારને ડિઝાઇન કરતી વખતે ધ્યાન કેન્દ્રિત કરવા માટેની ટીપ્સપ્રવેશદ્વાર બાંધવા માટે ઉચ્ચ ગુણવત્તાવાળા લાકડાનો ઉપયોગ કરો. મુખ્ય દરવાજાની બહાર કોઈપણ ફુવારો અથવા પાણી કેન્દ્રિત શણગાર મૂકવાનું ટાળો. પ્રવેશદ્વારની બહાર શૂ રેક અથવા ડસ્ટબિન સ્થાપિત કરવાનું ટાળો. મુખ્ય દરવાજા પાસે બાથરૂમ બનાવવાનું ટાળો. મુખ્ય દરવાજાને કાળો રંગકરવો જોઈએ. પ્રવેશદ્વાર સારી રીતે પ્રકાશિત હોવો જોઈએ. દરવાજો ઉત્કૃષ્ટ નેમપ્લેટ અને શુભ બંધનવારો, તોરણોથી સુશોભિત હોવો જોઈએ. દરવાજો ઘડિયાળની દિશામાં ખોલવો જોઈએ. પ્રવેશદ્વારની નજીક કોઈપણ પ્રાણીની મૂર્તિઓ અથવા પૂતળાઓ મૂકશો નહીં. નવા ઘરમાં ડાઇનિંગ હોલ માટે